અમેરિકામાં ઘણી બધી એરફિલ્ડ હતી, જ્યાં કોઇ 'એર ટ્રાફિક કંટ્રોલર' ન હોય. તમારે ત્યાં એકલા જવાનું અને પોતે જ રેડિયો પર એનાઉન્સ કરવાનું કે "હું અહીંયા લેન્ડિંગ કરવા આવી રહી છું." ત્યાં મદદ માટે કોઈ માણસ ન હોય. પ્લેનમાં ફ્યૂઅલ પણ જાતે જ ભરવાનું હોય અને ત્યાંના ફ્રિક્વન્સી કોડનો ઉપયોગ કરો ત્યારે જ ત્યાંની ઓફિસ ખુલે. મેં ત્યાં એક અલગ જ પ્રકારની ઇન્ડિપેન્ડન્ટ લાઇફ જોઇ. ક્યારેક એકલતા સાલતી એટલે રડવું પણ આવતું. અમેરિકામાં બહાર બધે નોન-વેજ મળતું હોવાથી પૂજાને જાતે જ રાંધવું પડતું. તે આશરે નવ થી દસ ભારતીય વિદ્યાર્થીઓ સાથે એક ફ્લેટમાં રહેતી, અને ભેગા મળીને કામ મેનેજ કરતી. પૂજા રોટલી વણતી અને બીજા વિદ્યાર્થીઓ શાક બનાવતા. એ દિવસોમાં ક્યારેક એકલતા સાલતી અને પૂજાને રડવું પણ આવી જતું કે ઘરે " મમ્મી હોત તો પ્રેમથી પીરસત. "માત્ર દસ મહિનામાં મારી ટ્રેનિંગ પૂરી કરી લીધી." પૂજા આગળ કહે છે કે, "ઓનલાઇન રિટર્ન એક્ઝામ કરતાં ફાઈલિંગની પ્રેક્ટિકલ એક્ઝામ વધારે ટફ હોય છે, કારણ કે દિવસ દરમિયાન એક્ઝામિનર તમારી સાથે પ્લેનમાં બેસે છે, અને તમને હવામાં જ એવી અણધારી કટોકટીની પરિસ્થિતિઓ આપે છે. જેમ કે 'એન્જિનીયર ફેલિયર' કે 'સિસ્ટમ ક્રેશ', જેમાંથી પ્લેનને સુરક્ષિત બહાર કાઢી અલગ-અલગ રીતે લેન્ડિંગ કરીને બતાવવાનું હોય છે. આ બધા જ ટેસ્ટ મેં પાસ કર્યા અને માત્ર દસ મહિનામાં મારી ટ્રેનિંગ પૂરી કરી લીધી. દિલ્હીમાં દિવસ-રાત એક કર્યા અને ડિફેન્સ ક્ષેત્રે એન્ટ્રી પૂજા સાથે અમેરિકામાં એક બનાવ બન્યો હતો. આ બનાવ અંગે વાત કરતા તે કહે છે કે, ટ્રેનિંગ પૂરી થવાના ગાળામાં અમેરિકામાં અમારી સાથે એક પ્લેનનો ઇન્સિડન્ટ બન્યો. જેના કારણે એ મલ્ટી-એન્જિન પ્લેન મેઇન્ટેન્સમાં જતું રહ્યું. અમારે બે એન્જિનિયરવાળા પ્લેન પચ્ચીસ કલાક ઉડાડવવાના બાકી હતા. સમય બચાવવા મેં અમેરિકાના લાયસન્સને ઇન્ડિયન લાયસન્સમાં કન્વર્ટ કરાવવા વચ્ચે ઇન્ડિયા આવવાનો ક્રિટિકલ નિર્ણય લીધો. ઇન્ડિયામાં પરીક્ષા દર ત્રણ મહિને આવતી અને બધા ત્રણ-ત્રણ મહિનાના ક્લાસીસ કરતા, પણ મારી પાસે માત્ર એક જ મહિનાનો સમય હતો. આ મંદીના કારણે એક આખું વર્ષ ઘરે બેસી રહેવું પડ્યું. એ મુશ્કેલ સમયમાં આસપાસના લોકો પણ પિતાને મહેણાં મારતા કે "દીકરી પાછળ આટલો મોટો ખર્ચ કેમ કર્યો?" તેમજ અત્યંત અઘરી પરીક્ષાઓમાં પાસ કરી. આ મંદીના સમયમાં જ પૂજાની લાઇફમાં નવો વળાંક આવ્યો. તે કહે છે કે "દિલ્હીમાં મને ખબર પડી કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પાયલટ તરીકે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ડાયરેક્ટ ભરતી આવી છે. મેં વર્ષ બે હજાર દસ માં ત્યાં એપ્લાય કર્યું. ઇન્ટરવ્યૂ દરમિયાન ત્યાં બેઠેલા એક ઓફિસરે મારા ડોક્યુમેન્ટ્સ જોઇને પૂછ્યું કે, 'તમે તો